કેટરિના ખૂબઅંધશ્રદ્ધાળુ છે. તેણી તેની ફિલ્મોની રજૂઆત પહેલા માઉન્ટ મેરી ચર્ચ અને મુંબઈમાં સિદ્ધવિનાયક મંદિર અને અજમેરમાં દરગાહ શરીફની મુલાકાત લે છે. તે બાર્બી ડોલ સાથે પ્રથમ બોલિવૂડ એક્ટર છે જે તેના પછી મોડલિંગ કરે છે. કેટરિના હજુ પણ યુકેની નાગરિક છે અને ભારતમાં વર્ક વિઝા પર છે. ઈન્ડિયાએ પાંચ વખત કેટરિનાને "વિશ્વની સૌથી સેક્સી મહિલા" જાહેર કરી. તેણીને પેઇન્ટિંગ ગમે છે અને તે એક મહાન ચેસ ખેલાડી પણ છે. વિકી અને કેટરિનાની તેમના ઘરની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ્સ વિકીના જન્મદિવસ પર કેટરિના દ્વારા તેમના ઘરમાં વિકી અને કેટરિનાની એક મીઠી તસવીર શેર કરવામાં આવી છે વિકીના જન્મદિવસ પર કેટરિનાએ શેર કરેલી અન્ય એક તસવીર જેમાં તેઓ ડાન્સ કરે છે વિકીએ તેની અને કેટરિનાનીસુંદર પોસ્ટ તેમની બાલ્કનીમાંથી સૂર્યાસ્તના દૃશ્ય સાથે શેર કરી છે કેટરિના કૈફ અને વિકી કૌશલ પર નવીનતમ સમાચાર કેટરિના કૈફ એક્શન શૈલીમાં પુનરાગમન કરશે. બોલિવૂડની પ્રેમિકા, કેટરિના, ટાઇગર માં સલમાન ખાન સાથે સ્ક્રીન સ્પેસ શેર કરશે. આ ફિલ્મ નવેમ્બરમાં રીલિઝ થવાની છે. તેની પાસે જી લે ઝરા જેવી અન્ય ફિલ્મો પણ છે, જેમાં આલિયા ભટ્ટ અને પ્રિયંકા ચોપરાની સહ-અભિનેતા છે. ફિલ્મનું શૂટિંગ હંજુ શરૂ થવાનું બાકી છે. બીજી તરફ, વિકી કૌશલ સારા અલી ખાન સાથે તેની તાજેતરની રિલીઝ થયેલી ફિલ્મ "જરા હટકે જરા બચકે"ની સફળતાની ઉજવણી કરી રહ્યો છે. બંને સ્ટાર્સ બોક્સ ઓફિસ પર તેમની મૂવીના અવિશ્વસનીય રનનો આનંદ માણી રહ્યા છે. ફિલ્મ હવે સિનેમાઘરોમાં છે અને તેણે ભારતમાં કરોડ રૂપિયાથી વધુની કમાની કરી છે. અને તે ટૂંક સમયમાં રૂપિયા કરોડના માઈલસ્ટોનને પાર કરે તેવી અપેક્ષા છે. ફિલ્મ એક એવા દંપતી વિશે છે જેઓ પોતાનું ઘર રાખવા ઈચ્છે છે અને પોતાના પરિવારથી દૂર સ્વતંત્ર રીતે જીવે છે. માટે, દંપતિએ ભારત સરકારના મુખ્ય કાર્યક્રમપ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા એપાર્ટમેન્ટ ખરીદવાનું નક્કી કર્યું. ફિલ્મ દરરોજ સરેરાશ કરોડ રૂપિયાની કમાની કરી રહી છે. તે જૂને રિલીઝ થયું હતું અને તેના શરૂઆતના દિવસે લગભગ રૂપિયા કરોડની કમાની કરી હતી. સારાંશ કેટરિના કૈફ અને વિકી કૌશલનું ઘર કેટરીના કૈફ અને વિકી કૌશલનું ઘર ખરેખર સ્વર્ગ છે. તમામ વૈભવી સુવિધાઓથી ભરપૂર, એપાર્ટમેન્ટ તમામ આરામ સુવિધાઓ પ્રદાન કરે છે જેથી નવદંપતિઓ સાથે મળીને તેમનો સમય માની શકે. રાજમહેલ બિલ્ડિંગમાં બેઝમેન્ટ પાર્કિંગની જગ્યા અને સાથે મજબૂત સુરક્ષા વ્યવસ્થા છે. સમુદ્ર-મુખી એપાર્ટમેન્ટ કેટરિના કૈફ અને વિકી કૌશલને સહસ્ત્રાબદ્દી સંવેદનાઓને પ્રતિબિંબિત કરતી સમકાલીન આંતરિક વસ્તુઓ સાથે પ્રકૃતિ અને લક્ઝરીના સુંદર મિશ્રણનો અનુભવ કરવાની મંજૂરી આપે છે. તદુપરાંત,અદભૂત એપાર્ટમેન્ટ કેટરિના